અને સાથે મળીને અમે વિધાનસભાઓમાં જઈએ છીએ પરોપકારીથી ને સંક્રમણ કરવા ટકાઉ અને સ્કેલેબલ રાજ્ય ભંડોળ માટે. તે યોજના કામ કરી છે. તે યોજના કામ કરી છે આજની તારીખે ત્રણ રાજ્યોમાં: ઉતાહ, ઈન્ડોનિયાના અને દક્ષિણ કેરોલિયાના. અમે પ્રોગ્રામને પણ ચલાવ્યો છે સંખ્યાબંધ રાજ્યોમાં અમે ચેમ્પિયનની ઓળખ કરી. આગળ, અમે રાજ્યોમાં જઈ રહ્યા છીએ મહાન ભૌગોલિક અવરોધો સાથે યોજના કામ કરવા માટે અને પછી રાજ્યો પર કે પહેલેથી જ પ્રારંભિક શિક્ષણ છે પરંતુ ન મળી શકે મહાન શૈક્ષણિક પરિણામો અથવા ભાગ લેવા માટે ઉત્તમ પિતૃ ખરીદો. અમે દસ લાખની સેવા આપીશું પાંચ વરસમાં બાળકો અને અમે ખાતરી આપીશું કે રાજ્યો ચાલુ રહે તેમના બાળકોને યુ.પી.એસ.ટી. કેવી રીતે સહાય કરી શકાય તે અહીં છે. બે હજાર ડોલર માટે અમે બાળક પ્રદાન કરી શકીએ છીએ સાથે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ અને તે બાળક પાઇટલ લટનો ભાગ બનશે તે ચોક્કસ અન્ય બાળકો બનાવે છે ભવિષ્યમાં મેળવો. આપણે રોકાયેલા નાગરિકોની પણ જરૂર છે તેમની સરકાર પર જવા માટે અને કહો કે તે કેટલું સરળ છે બાળકોને શાળા માટે તૈયાર કરવા. તમે અહીં ન હોત તો જો તમે રોકાયેલા નાગરિક ન હોત. તેથી અમે તમારી સહાય માટે કહીશું. હવે, શું આપણે બધા આ બનાવશું? પ્રારંભિક શિક્ષણ એક જળમૂલક ક્ષણ? હું માનું છું કે આપણે તેને બનાવી શકીશું. તો મને કંઈક મળ્યું જેને કબૂલ કરવામાં મને થોડી શરમ છે. સેવેનટીન વર્ષની ઉંમરે એક સર્જનવાદી તરીકે, મેં ઇવોલ્યુશનનો અભ્યાસ કરવા યુનિવર્સિટી જવાનું નક્કી કર્યું જેથી હું તેનો નાશ કરી શકું. હું નિષ્ફળ ગયો. હું ખૂબ જ અદભૂત નિષ્ફળ કે હવે હું ઇવોલ્યુશનરી બાયોલોજિસ્ટ છું. તો હું એક પેલેઓએન્ટ્રોપોલીજિસ્ટ અને નેશનલ જિયોગ્રાફિક એક્સપ્લોર છું. ગુફાઓમાં અશ્મિભૂત શિકારમાં નિષ્ણાત અસ્થિર, પ્રતિકૂળ અને વિવાદિત પ્રદેશોમાં. અને આપણે બધા તે જાણીએ છીએ જો હું છોકરી હોત અને છોકરી ન હોત, તે નોકરીનું વર્ણન નહીં હોય. તે એક પિક-અપ લાઇન હશે. હવે, અહીં વાત છે. મારી પાસે મૃત્યુની ઇચ્છા નથી. હું એડ્રીનાલિન જંકી નથી. મેં હમણાં જ એક નસ્કા તરફ જોયું. જુઓ, ફ્રન્ટલાઈન સંશોધન વૈજ્ઞાનિક એટલું થતું નથી રાજકીય અસ્થિર પ્રદેશોમાં. આ તે બધી જગ્યાઓનો નકશો છે જે બ્રિટીશ ફોરેન ઓફિસ સમાવેલ જાહેર કર્યું છે લાલ ઝોન, નારંગી ઝોન અથવા કોઈ પ્રકારનો વધારો કર્યો છે.